જો તમારી બેડ અથવા બેડશીટ હળવા શેડની હોય તો તેનો ઉપયોગ કરી શકાય છે. નેવી-બ્લુ કલર આર્ટવર્ક જો તમારો ઓરડો મોટાભાગે સફેદ હોય, તો તમે નેવી-બ્લુ કલરનાં શિલ્પો, વોલ પેઈન્ટિંગ્સ, વાઝ, બુકકેસ, કૃત્રિમ ફૂલો વગેરેને ધ્યાનમાં લઈ શકો છો. નેવી-બ્લુ કલર કોમ્બિનેશનનો ઉપયોગ કરીને બોનસ લિવિંગ રૂમના વિચારો આંતરિક ડિઝાઇનરો નીચે જણાવેલ વિચારો દ્વારા શપથ લેય છે. આખા રૂમને નેવી-બ્લુ કલરથી પેઈન્ટ કરો, નેવી-બ્લુ ફર્નિચર અને કાર્પેટ ખરીદો અને સફેદ ડેકોર ઉમેરો. લિવિંગ રૂમમાં તમે કરી શકો તેટલી આર્ટવર્ક ઉમેરો. જગ્યાને જીવંત બનાવશે. તમારી છતને નેવી-બ્લુ રંગથી રંગો અને તમારી દિવાલોને સફેદ રાખો. લિવિંગ રૂમના સમગ્ર દેખાવ અત્યંત પ્રભાવશાળી હશે. તમારા આખા રૂમને પીચ રંગથી રંગો અને તેમાં નેવી-બ્લુ સોફા ઉમેરો. તેને કેટલાક પેટર્નવાળા કુશન વડે જીવંત બનાવો. તમારા લિવિંગ રૂમમાં નેવી-બ્લુ રંગને અણધારી રીતે ઉમેરો, જેમ કે પુસ્તકો, ફૂલદાની, સ્ટૂલ વગેરે. ભવ્ય દેખાવ માટે, નેવી-બ્લુ રંગને ધાતુઓ અથવા ધાતુના ઉચ્ચારો જેવા કે ઝુમ્મર, મિરર્સ, મોલ્ડિંગ્સ, કોફી ટેબલ અને સાઇડ ટેબલ વગેરે સાથે જોડી દો. વાસ્તુશાસ્ત્ર નેવી બ્લુ રંગ સાથે સંકળાયેલું છે ઘરના ચોક્કસ વિસ્તાર માટે ચોક્કસ રંગો પસંદ કરવા પાછળ એક વિજ્ઞાન છે. રંગો વાસ્તુ માન્ય હોવા જોઈએ. વાસ્તુ અનુરૂપ રંગ પસંદ કરવા પાછળનું કારણ વિવિધ રંગો સાથે સંકળાયેલું વિજ્ઞાન છે. નેવી બ્લુ રંગ વાદળી પરિવારનો છે, જેની સાથે અનેક અર્થો જોડાયેલા છે. વાદળી પાણી અને આકાશ સાથે સંકળાયેલ છે. બંને તત્વો લોકોમાં લાગણીઓ જગાડે છે. આમ વાદળી રંગ લોકોની લાગણીઓને અસર કરવા માટે પણ જાણીતું છે. તે ઇન્દ્રિયોને શાંત કરી શકે છે અને શાંતિ લાવી શકે છે. વાસ્તુ અનુસાર વાદળી રંગ સકારાત્મક ઉર્જા અને શાંતિ લાવે છે. તેથી ઘણી વખત, વાસ્તુ ઘરમાં દિવાલના રંગ તરીકે નેવી બ્લુ અને તેના શેડ્સ રાખવાની ભલામણ કરે છે. નેવી બ્લુ કલરનો ઉપયોગ કરતી વખતે, તમે રૂમમાં ઊર્જાને સંતુલિત કરવા માટે તેને અન્ય હળવા રંગના સંયોજનો સાથે જોડી શકો છો. વધુ પડતો વાદળી રંગ તેને અલગ, ઠંડા અને દૂરના દેખાઈ શકે છે. આમ નેવી બ્લુ રંગની ઊર્જાને સંતુલિત કરવા માટે હંમેશા અન્ય રંગોનો ઉપયોગ કરો. નેવી બ્લુ કલર કોમ્બિનેશનનો નિષ્કર્ષ નેવી-બ્લુસદાબહાર અને બહુમુખી રંગ છે જે તમે કલ્પના કરી શકો તેવા મોટાભાગના અન્ય રંગોને પૂરક બનાવે છે. તમે તેને તેજસ્વી છતાં સર્વોપરી રાખવા માટે સફેદ, ક્રીમ,રંગેલું ઊની કાપડ અથવા નારંગીના હળવા શેડ્સ સાથે નેવી-બ્લુ કલર કોમ્બિનેશનનો ઉપયોગ કરી શકો છો. નેવી-બ્લુ સાથે તેમ ગમે તે રંગનો ઉપયોગ કરો છો, તે તેમ ક્યારેય નિરાશ થશો નહીં. અન્ય રંગ વિચારો.